બિરબલ ખૂબ નારાજ થઈ ગયો. તેને સમજાતું ન હતું કે શું કરવું? એક દિવસ અકબર અને બિરબલ યમુના નદીના કિનારે ફરતા હતા. ત્યાં તેમણે એક ઊંટ જોયું. અકબર બોલ્યો; બિરબલ, મને કહે કે ઊંટની ડોક કદરુપી કેમ હોય છે? બિરબલને થયું,રાજાને યાદ દેવડાવવાનો આ સારો મોકો છે. તે બોલ્યો; નામદાર, કદા કદાચ ઊંટ, તેણે કોઈને આપેલું વચન ભૂલી ગયું હશે. એટલે તેની ડોક કદરુપી થઈ ગઈ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જે પોતે આપેલા વચનોનું પાલન નથી કરતો તેની ડોક કદરુપી થઈ જાય છે. આને કારણે ઊંટની ડોક પણ કદરૂપી થઈ હશે તેવું લાગે છે. અકબરએ તરત, અકબરને તરત યાદ આવ્યું કે તેણે બિરબલને ભેટ આપવાનુ વચન આપ્યું હતું પણ હજુ સુધી તેણે વચનનું પાલન કર્યું નથી. જેવો તે પોતાના મહેલમાં પહોંચ્યો કે તરત જે તેણે ઘણી બધી કિંમતી ભેટો બિરબલને આપી. આમ બિરબલ એટલો ડાહ્યો હતો કે તેણે કશું પણ માંગ્યા વગર જ પોતાને જે જોઈતું હતું તે મેળવી લીધું. ગધેડો કોણ? એક દિવસ અકબર,તેના બે દિકરાઓ અને બિરબલ નદીએ ગયા. ત્યાં અકબર અને તેના બંને દિકરાઓએ કપડાં ઉતારી બિરબલને સાચવાવા આપ્યા અને તેઓ નદીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા. બિરબલ તેઓ નદીમાંથી બહાર આવે તેની રાહ જોઈને ઉભો હતો. અકબર અને તેના દીકરાઓના કપડા બિરબલના ખભા પર હતા. જ્યારે તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે બિરબલને ખભા પર કપડા લઈને ઉભેલો જોયો. આથી અકબરને મજાક કરી ખિજવવાનું મન થયું. તે બોલ્યો; બિરબલ તું જાણે ધોબીના ગધેડાની જેમ ભાર ઉચકીને ઉભો હોય તેવું લાગે છે. હાજર જવાબી બિરબલ તરત જ બોલ્યો; જહાંપનાહ,ધોબીનો ગધેડો તો એક જ ગધેડા, ગધેડાનો ભાર ઉચકે.. મેં તો ત્રણ ગધેડાનો ભાર ઉચક્યો છે. અકબર તેનો જવાબ સાંભળીને ચૂપ જ થઈ ગયો.. એક દિવસ અકબર,તેના બે દિકરાઓ અને બિરબલ નદીએ ગયા. ત્યાં અકબર અને તેના બંને દિકરાઓએ કપડાં ઉતારી બિરબલને સાચવાવા આપ્યા અને તેઓ નદીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા. બિરબલ તેઓ નદીમાંથી બહાર આવે તેની રાહ જોઈને ઉભો હતો. અકબર અને તેના દીકરાઓના કપડા બિરબલના ખભા પર હતા. જ્યારે તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે બિરબલને ખભા પર કપડા લઈને ઉભેલો જોયો. આથી અકબરને મજાક કરી ખિજવવાનું મન થયું. તે બોલ્યો; બિરબલ તું જાણે ધોબીના ગધેડાની જેમ ભાર ઉચકીને ઉભો હોય તેવું લાગે છે. હાજર જવાબી બિરબલ તરત જ બોલ્યો; જહાંપનાહ,ધોબીનો ગધેડો તો એક જ ગધેડાનો ભાર ઉચકે.. મેં તો ત્રણ ગધેડાનો ભાર ઉચક્યો છે.અકબર તેનો જવાબ સાંભળીને ચૂપ જ થઈ ગયો.. પ્રશ્નના જવાબમાં